ટ્રમ્પ અનુસાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે લેવડ-દેવડ પર જ આધારિત રહેશે. બાઇડેનની વિચારશ્રેણી આવી નથી. બાઇડેનની વિદેશ નીતિમાં ટ્રમ્પ કરતા ઘણી વધારે સ્થિરતા જોવા મળે છે. દાખલા તરીકે ભારતને માત્ર એ માહિતી આપવા માટે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને હટાવામાં આવી રહ્યા છે, અમેરિકા એ દેશને સ્થિર કરવા માટે ભારત પાસે મદદ માંગી. રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન આ મામલામાં પડે તેવી સંભાવના ખુબ ઓછી જ છે, જે રાજકીય રીતે કોઇ માઇનફીલ્ડના જેવી છે. બાઇડેન ભારત-પાકિસ્તાન વિવાદ હોય કે ચીન સાથે ચાલી રહેલા તણાવમાં દખલગીરી કરે એવી આશા ખુબ ઓછી છે. તેઓ અમેરિકન વિદેશ મંત્રાલયમાં દાયકાઓ સુધી કામ કરી ચૂકયા છે. આ સિવાય તેઓ પોતાના સલાહકારોની વાત સાંભળવા માટે પણ જાણીતા છે. બાઇડેન કોઇપણ એક ઘટના કે મુદ્દાના આધાર પર ભારતના પ્રત્યે અમેરિકન નીતિમાં બદલાવ લાવવાના ઇચ્છુક દેખાઈ રહ્યા નથી. આ સિવાય પ્રવાસીઓને લઇને પણ બાઇડેનનું વલણ નરમ જોવા મળે છે, જ્યારે ટ્રમ્પ કેટલાંય મોકાઓં પર વીઝા માટે લિમિટ લગાવી દે છે. ટ્રમ્પે સાધારણ સ્તરે ભારત સાથે ધંધો ચાલુ રાખ્યો હતો. બાઇડેન આવું કરે એવી આશા ખુબ ઓછી દેખાઈ રહી છે. ડેમોક્રેટ પ્રશાસનમાં ભારતની સ્થિતિ વધુ શ્રેષ્ઠ દેખાઇ રહી છે. ટ્રમ્પે જે રીતે ચીન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો તેનાથી પર્સેપ્શન બેટલમાં ભારતને ઘણો ફાયદો થયો હતો, પરંતુ તેનાથી ભારતને લઇ અમેરિકાને અનુસરવાની વાત થવા લાગી હતી. પાકિસ્તાનને લઇ ટ્રમ્પ પ્રશાસનને પહેલાં કડકાઇ દેખાડી ચુકી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં વાતચીત દરમિયાન તેની આગળ ઝૂકી ગયું. બાઇડેન કહે છે કે, દક્ષિણ એશિયામાં આતંકવાદ પર કોઇ સમજૂતી થશે નહીં. બાઇડેને પહેલાં જ ભારત અને અમેરિકામાં ભારતીય-અમેરિકનો માટે વિસ્તૃત યોજના રજુ કરી હતી. કાશ્મીરને લઇ ટ્રમ્પની મધ્યસ્થિતાની ઓફરને લીધે ભારતને ઘણું નુકશાન થયું હતું. બીડેન ચુંટણી દરમિયાન કાશ્મીરને લઇ અવાજ ઉઠાવતા રહ્યા, પરંતુ તેને ચૂંટણી સ્ટંટ પણ ગણાવી શકાય. કાશ્મીર પર નિવેદન આપ્યાની તરત જ તેમણે એક સંદેશમાં ભારતને 'નેચરલ પાર્ટનર' તરીકે ગણાવ્યું હતું.